વાસ્તુ મુજબ દરેક રંગ શું સૂચવે છે તે તપાસો અને તે મુજબ તમારી પસંદગી કરો. લાલ લાલબોલ્ડ રંગ છે જે લાગણી, ક્રિયા, હૂંફ, ઉર્જા, બહાદુરી, જુસ્સો અને જીવંતતા દર્શાવે છે. ઘરની અંદર વપરાયેલ, તે ઊર્જાને ઉત્તેજીત કરી શકે છે, રોમાંસમાં વધારો કરી શકે છે અને રહેવાસીઓને તેમના રોજિંદા જીવનમાં વધુ સક્રિય બનાવી શકે છે. પ્રવૃત્તિ સ્તર વધારવા માટે તમારા હોલને લાલ રંગ કરો વાદળી વાદળી રંગ ખૂબઆનંદદાયક છે અને સત્ય, સુંદરતા, લાગણી અને ભક્તિને દર્શાવે છે. તે એક એવો રંગ છે જે તમને હોય તેવી કોઈપણ પીડા અથવા મુશ્કેલીને ઘટાડવામાં મદદ કરી શકે છે. જ્યારે તમારા ઘરની દિવાલોને રંગ આપવા માટે ઉપયોગમાં લેવાય છે, ત્યારે તે તમને ઉપચાર પ્રક્રિયાને વધારીને અને ઝડપી બનાવીને પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. વાદળી રંગ સત્ય અને લાગણી દર્શાવે છે લીલા વાસ્તુશાસ્ત્ર મુજબ, લીલો રંગ પ્રકૃતિ, ફળદ્રુપતા, સમૃદ્ધિ, વૃદ્ધિ, પુનર્જન્મ, અને સર્જન અને ઉપચાર દર્શાવે છે. ગુણો તેને તમારા હોલ અને લિવિંગ રૂમ માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે. અભ્યાસને લીલો રંગ આપવાથી સર્જનાત્મકતા પણ વધી શકે છે! લીલો રંગ વૃદ્ધિ અને ઉપચારનું પ્રતીક છે વાસ્તુ મુજબ ઘરે સ્ટડી ટેબલ માટે શ્રેષ્ઠ દિશા, વાસ્તુ મુજબ બેડરૂમ ફર્નિચર પ્લેસમેન્ટ ટિપ્સબેડરૂમ વાસ્તુ ટિપ્સને અનુસરવા માટે સરળ, લગ્ન અને સારા સંબંધો માટે વાસ્તુ ટિપ્સ, ઘર માટે વાસ્તુ દિશાઓઘર માટેવાસ્તુ ટિપ્સ અજમાવો!,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 રંગ તમને મજબૂત અને આત્મવિશ્વાસ બનાવે છે. જો તમે અનિર્ણાયક વ્યક્તિ છો, તો તમારે તમારા હોલને વાયોલેટ રંગમાં રંગવું ધ્યાનમાં લેવું જોઈએ. વાયોલેટ રંગ એકાગ્રતા વધારે છે સફેદ જો તમે વાસ્તુ અનુસાર રંગો શોધી રહ્યા છો, તો સફેદ એક શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે. તે તેની સાથે શાંતિ, સરળતા, સંવેદના અને સ્વચ્છતાની લાગણી લાવે છે. તે આત્મીયતા અને ગોપનીયતાને પણ દર્શાવે છે, જે તેને તમારા લિવિંગ રૂમ તેમજ તમારા બેડરૂમ માટે યોગ્ય બનાવે છે. હોલની છત પણ સફેદ હોઈ શકે છે. સફેદ રંગ શાંતિ અને સૌમ્યતા દર્શાવે છે પીળો જ્યારે તમે વાસ્તુ કલર્સ તપાસો છો, ત્યારે તમે જોશો કે પીળો રંગ યાદીમાં મુખ્ય સ્થાન લે છે. એટલા માટે છે કારણ કે તે સંપત્તિ, બુદ્ધિ, શુદ્ધતા, આશાવાદ, હકારાત્મકતા અને એકાગ્રતા માટે વપરાય છે. જે